રણવીરને ઈન્ટરનેશનલ એડવર્ટાઈઝિંગ એસોસિએશનના બ્રાન્ડ એન્ડોર્સર ઓફર તરીકે બિરદાવવામાં આવ્યો છે, જેણે તેને સમાચારમાં મૂક્યો છે. હાલમાં તે વિવિધ કંપનીઓને સમર્થન આપે છે. અહીં સિંઘ દ્વારા સમર્થન કરાયેલ ટોચની બ્રાન્ડ્સની સૂચિ છે: ચિંગનું રહસ્ય, થમ્સ અપ, શાઓમી ઇન્ડિયા, જેબીએલ, કોટક મહિન્દ્રા બેંક, જેક એન્ડ જોન્સ, મારુતિ સુઝુકી, લ્યોડ, બિન્ગો, સલમાન ખાન હાઉસ, શાહરૂખ ખાન હાઉસ, આમિર ખાન હાઉસ, પટૌડી પેલેસ, અજય દેવગન હાઉસ, એન્ટિલિયા, મુકેશ અંબાણી હાઉસ, ઈશા અંબાણી હાઉસ, રણબીર કપૂર હાઉસ, જાહ્નવી કપૂર હાઉસ, સોનમ કપૂર હાઉસ. સરનામું, ફોટા, આંતરિક અને વધુ: અમે તમને અદભૂત સોનમ કપૂરના ઘરની વર્ચ્યુઅલ ટૂર પર લઈ જઈએ છીએ, હાથથી પસંદ કરેલ સરંજામ અને આશ્ચર્યજનક ઇન્ડો-વેસ્ટર્ન શૈલીના આશ્રયસ્થાન દ્વારા ચિહ્નિત થયેલ છે. સોનમ કપૂરે ભારતીય સિનેમામાં પોતાને એક અગ્રણી વ્યક્તિ તરીકે સ્થાપિત કરી છે. તેણીએ તેના બહુમુખી અભિનયથી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા છે. સાવરિયા માં તેણીની યાદગાર પદાર્પણથી નીરજા અને રાંઝણા જેવી ફિલ્મોમાં તેણીની વિવેચકો દ્વારા વખાણાયેલી ભૂમિકાઓ સુધી, સોનમ કપૂરે નોંધપાત્ર શ્રેણી સાથે એક અભિનેતા તરીકેની તેની ક્ષમતા સાબિત કરી છે. જ્યારે તેણીની અભિનય કૌશલ્યએ તેણીની પ્રશંસા અને ખ્યાતિ મેળવી છે, ત્યારે સોનમ કપૂરનું ઘર એક અભયારણ્ય પૂરું પાડે છે જ્યાં તેણી આરામ કરી શકે છે અને રિચાર્જ કરી શકે છે. તે એક અભિનેતા તરીકેની તેણીની સફરને પ્રતિબિંબિત કરે છે, તેણીએ તેણીની સમગ્ર કારકિર્દી દરમિયાન હાંસલ કરેલા લક્ષ્યોની યાદ અપાવે છે. ડિઝાઇન અને સૌંદર્ય શાસ્ત્ર માટે તેણીની આતુર નજર તેણીના સમગ્ર ઘરમાં ફેશન-આગળની સંવેદનશીલતા દર્શાવે છે. તો અમે સોનમ કપૂરના ઘરે જવાનો સાહસ કરીને અમારી સાથે જોડાઓ અને સિલ્વર સ્ક્રીનના ગ્લેમરની બહાર બોલિવૂડ સ્ટારલેટના જીવન વિશે વધુ માહિતી જાણો. લંડનમાં સોનમ કપૂર હાઉસ લિવિંગ રૂમ. લંડનમાં સોનમ કપૂરનું ઘર નોટિંગ હિલ નામના મોહક બોહેમિયન ગામમાં આવેલું છે. બહારથી, મી સદીના નિયોક્લાસિકલ આર્કિટેક્ચરને મનમોહક દર્શાવવામાં આવ્યું છે, જ્યારે અંદરના ભાગમાં બંને સંસ્કૃતિના ઘટકોને સંયોજિત કરીને ઈન્ડો-બ્રિટિશ આર્કિટેક્ચરલ ફ્યુઝન દર્શાવવામાં આવ્યું છે. ઘર જ્યાં સ્થિત છે તે શેરીમાં અલંકૃત વાતાવરણ છે, જેમાં રહેણાંકના રવેશના ભાગો જટિલ થાંભલાઓ અને વ્યૂહાત્મક રીતે મૂકવામાં આવેલી બારીઓ દ્વારા વિક્ટોરિયન યુગને પ્રતિબિંબિત કરે છે. સોનમ કપૂર હાઉસની અંદર, જ્યારે એક્સટીરિયર્સ સ સરળ છે, ત્યારે સોનમ કપૂરના ઘરના ઈન્ટિરિયર્સ મનમોહક ડિઝાઇન ધરાવે છે. સંતુલિત અને સુમેળભર્યા વાતાવરણનું રહસ્ય સમગ્ર અવકાશમાં વિચારપૂર્વક સમાવિષ્ટ હાથથી પસંદ કરાયેલા સરંજામના ટુકડાઓમાં રહેલું છે. વિન્ટેજ ફર્નિચર, વેલ્વેટ પલંગ, પર્શિયન ગોદડાં, પ્રકૃતિ-પ્રેરિત વૉલપેપર અને ભવ્ય ઝુમ્મર સાથે, ઘરનો દરેક ખૂણો સુંદર લાગે છે. સોનમ કપૂરનું લંડનનું ઘર ડિઝાઇનરના સ્વર્ગથી ઓછું નથી.